અથવા માં જઈને સર્ચ પણ કરી શકો છો. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ, ગુગલ ન્યુઝમાં ફોલો કરો, શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે તો થઈ જજો સાવધાન! 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખુલતા કેવડિયા પ્રવાસન સ્થળ ફરી પ્રવાસીઓની અવરજવરથી ધબકતું બન્યું છે તથા કોવિડ ઓગણીસ નિયમોના પાલનની સાથે કુલ નેવ ટકા પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવ્યાં છે. કેટલાંક સમયથી પ્રવાસીઓ જે પ્રવાસ સ્થળે ખુલવાની રાહ જોઈ રહ્યાં હતાં એ પ્રવાસ સ્થામ જોવા પ્રથમ દિવસે જ કુલ ચારસો છવીસ જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. જો કે, સવારમાં દસ વાગ્યાંથી લઈને બાર વાગ્યાં સુધીના પહેલાં સ્લોટમાં કુલ સત્તર લોકોએ સ્ટેચ્યુમાં પ્રવેશ મેળવ્યો હતો. કેવડિયા કોલોનીનાં પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવ્યાં: કેવડિયા કોલોનીમાં એક ઓક્ટોબરથી બંધ પડેલ જંગલ સફારી ટ્રાયલ બેઝ પર ફરી ચાલુ કરી દેવામાં આવ્યા પછી દસ ઓક્ટોબરે ટ્રાયલ બેઝ પર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એક્તા મોલ પ્રવાસીઓની માટે ફરી ખુલ્લાં મુકાયા પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો તથા કોવિડ ઓગણીસ ની ગાઇડલાઇન મુજબ પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવ્યાં છે. પંદર ઓક્ટોબરે રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાયા પછી આજથી એટલે કે, સત્તર ઓક્ટોબરથી એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રવાસીઓ માટે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આની માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ ઓગણીસની ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની બધી સુવિધા સુનિશ્ચિત કરી દેવામાં આવ્યુ છે. કુલ પાંચ સ્લોટમાં પ્રવાસીઓને પ્રવેશ: આજે સવારથી કુલ પાંચ સ્લોટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. પહેલા કુલ આઠ થી દસ ના સ્લોટમાં કુલ પાંસો પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવતી હતી. જો કે, કુલ સત્યાવીસ જેટલા પ્રવાસીઓ પહેલાં સ્લોટમાં જોવા માટે ગયા હતા. આમ, સંપૂર્ણ દિવસ દરમિયાન કુલ ચારસો છવીસ જેટલા પ્રવાસીઓએ ટિકિટ બુકિંગ કરાવી છે. ટિકિટ સ્કેનિંગથી લઈને વોકે લેટર તથા બધી જગ્યાએ ફિઝિકલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવામાં આવ્યા છે તથા માઈક પર પણ એનાઉન્સ થતું રહેશે.